જેમણે સાઉથની ફિલ્મ નથી જોઈ તેમને માટે વાત કરીએ તો સ્ટોરી કબીર રાજવીર સિંહની છે, જે અભ્યાસ કરે છે અને તે ત્યાંની ટોપર છે, સાથે જ તે કોલેજની ફુટબોલ ટીમનો કેપ્ટન પણ છે. પરંતુ કબીરની માત્ર એક જ ખામી છે, તેને ગુસ્સો ખૂબ જ જલ્દી આવી જાય છે. ત્યાં સુધી કે તે કોઈનો જીવ પણ લઈ શકે છે. પછી એના જીવનમાં થાય છે પ્રીતિની એન્ટ્રી, જે કોલેજમાં ફર્સ્ટ યરની સ્ટુડન્ટ છે. કબીરને તેની સાથે પ્રેમ થઈ જાય છે, પરંતુ બાદમાં તે બંને છૂટા પડી જાય છે અને પછી શરૂ થાય છે, કબીરનો બરબાદીના રસ્તે ચાલવાનો કિસ્સો. હવે કબીર દિવસ-રાત દારૂ પીએ છે, ગાંજાથી લઈને કોકેઈન સુધી બધુ જ કરે છે અને સાથે જ હોસ્પિટલમાં સર્જન તરીકે કામ પણ કરે છે. પછી શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવા જવી પડશે. કલાકારોની એક્ટિંગની વાત કરીએ તો શાહિદ કપૂર, કબીર સિંહના કેરેક્ટરમાં જબરદસ્ત છે. એક જીદ્દી, અડિયલ છોકરો જે હંમેશાં ગુસ્સામાં રહે છે. એવું કેરેક્ટર પ્લે કરવું સરળ કામ નથી. તેમાં પણ વળી એક દારૂડિયોનો રોલ પ્લે કરવો એના કરતા વધારે મુશ્કેલ છે પરંતુ શાહિદે તે કામ ખૂબ જ સરળતાથી કર્યું છે. પ્રીતિ રોલમાં કિયારા અડવાણી સારી છે તેણે પોતાનું કેરેક્ટરને છેલ્લે સુધી પકડી રાખ્યું છે. બાકીના એક્ટરર્સ જેવાકે, સુરેશ ઓબેરોય, અર્જુન જાબવા, આદિલ હુસેન, વગેરેએ પણ સારું કામ કર્યું છે. આ ઉપરાંત એક કેરેક્ટર જે તમારા દિલમાં વસી જશે, એ છે કબીર સિંહ ના ફ્રેન્ડ શિવાનો રોલ. એક્ટર સોહમ મજૂંમદારે શિવાનો રોલ બખૂબી પ્લે કર્યો છે. કોઈ ફિલ્મ પરફેક્ટ નથી હોતી, તેમ કબીર સિંહમાં થોડી ખામીઓ પણ છે પરંતુ તેનો ઈગ્નોર કરી શકાય તેવી છે. આ ફિલ્મ ખાસ તો શાહિદની શાનદાર એક્ટિંગ, કિયારાની સાદગી, સોહમની મિત્રતા અને સારું મ્યુઝીક આ ફિલ્મ થિયેટરમાં જોવા જવા માટે મહત્ત્વના કારણો છે.